ડેપ્યુટી સીએમે કહ્યું કે અમને સમર્થન આપનારા ઘણા ધારાસભ્યો અહીં હાજર નથી. તેમણે કહ્યું કે ભાજપમાં નેતાઓ પંચોત્તેર વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ જાય છે. તમારી ઉંમર ત્યાંસી વર્ષ છે. તમે નિવૃત્ત થશો કે નહીં? વિપક્ષી એકતાની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે પટના બેઠકમાં વિપક્ષી નેતાઓ ભોજન કરીને પરત ફર્યા હતા.અજીત પવારે કહ્યું કે હું મહારાષ્ટ્રના સીએમ બનીને લોકોના કલ્યાણ માટે કેટલીક યોજનાઓ લાગુ કરવા માંગુ છું. તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસ માં નરેન્દ્ર મોદી જ ચૂંટણી જીતશે. તેમનો કોઈ વિકલ્પ નથી. અમે શરદ પવારનું સન્માન કરીએ છીએ, તેમના આશીર્વાદ માંગીએ છીએ. શરદ પવારને ચેતવણી આપતા અજીત પવારે કહ્યું કે જો તમે યાત્રા કાઢશો તો હું પણ પાછળ રહીશ નહીં. હું તમને વિનંતી કરું છું કે હવે આરામ કરો. પ્રફુલ્લ પટેલે કહ્યું જ્યારે શિવસેનાનો સ્વીકાર તો ભાજપનો કેમ નહીં? આ પહેલા અજિત પવાર જૂથના સમર્થકોને સંબોધિત કરતા પ્રફુલ પટેલે કહ્યું કે જ્યારે આપણે શિવસેનાની વિચારધારાને સ્વીકારી શકીએ છીએ તો ભાજપ સાથે જવામાં શું વાંધો છે. અમે આ જોડાણમાં એક સ્વતંત્ર યુનિટ તરીકે જોડાયા છીએ. મહેબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગયા હતા અને હવે તેઓ સંયુક્ત વિપક્ષનો ભાગ છે. તેમણે કહ્યું કે હું શરદ પવાર સાથે વિપક્ષની પટના બેઠકમાં ભાગ લેવા પણ ગયો હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને હું હસી પડ્યો હતો. જેમાંસત્તર વિપક્ષી પાર્ટીઓ હતી, જેમાંથી સાત પાસે માત્ર એક-એક લોકસભા સાંસદ હતા. એક પાર્ટી એવી પણ હતી જેના સાંસદોની સંખ્યા શૂન્ય હતી. તે દાવો કરે છે કે તેઓ પરિવર્તન લાવશે. અમે પોતાના હિતમાં નહીં પરંતુ દેશ અને પાર્ટીના હિતમાં એનડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અજિત પવાર શરદ પવાર, બેઠકમાં શું થયું? કોની પાસે વધુ શક્તિ? જાણો બધુ જ અજિત પવાર શરદ પવાર, બેઠકમાં શું થયું? કોની પાસે વધુ શક્તિ? જાણો બધુ જ એનસીપીમાં અજિત પવાર અને શરદ પવાર વચ્ચે ભાગલાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો, ત્યારે બંને નેતાએ બેઠકમાં પોતાની શક્તિનું પ્રદર્શન બતાવ્યું, જેમાં અજિત પવારનું પલડું હાલ ભારે જોવા મળી રહ્યું છે. શરદ પવાર મહારાષ્ટ્ર માં રાજકીય ગરમાવો રસપ્રદ બની રહ્યો છે. અજિત જૂથ અને શરદ પવાર બંને જૂથની બેઠક ચાલી રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ના ત્રેપ્પન ધારાસભ્યોમાંથી પાંત્રીસ ધારાસભ્યો અજિત પવાર જૂથની બેઠકમાં હાજર છે, જ્યારે શરદ પવારની બેઠકમાં તેર ધારાસભ્યો હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે, અજિત પવાર હજુ પણ પોતાના સમર્થક ધારાસભ્યોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ધારાસભ્યો બેઠકમાં આવ્યા ન હતા તેમની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. અજિત જૂથનો દાવો છે કે, તેમની પાસે બેતાળીસ ધારાસભ્યો અને ત્રણ એમએલસીનું સમર્થન છે. શરદ પવાર સાથે તેર ધારાસભ્યો અને પાંચ સાંસદો સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈના ચવ્હાણ સેન્ટરમાં જ્યાં શરદ પવારના નેતૃત્વમાં બેઠક ચાલી રહી છે ત્યાં તેર, ત્રણ અને પાંચ હાજર છે.